પંચાવન આઠ મહારાષ્ટ્રમાં વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયેલા કોરોનાના શંકાસ્પદ કેસવાળા બસ્સો અઠ્ઠાવન લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે ઘેર પાછા ફરવાની ગઈકાલે મંજુરી અપાઈ છે પંચાવન નવ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું છે કે રાજ્ય સરકાર મહિલાઓ સામેના અત્યાચારો નિયંત્રણમાં લેવા નવા કડક કાયદો રચવાની વિચારણા કરી રહી છે ઉલ્લેખનીય છે કે યસ બેન્ક દ્વારા અપાયેલા ધિરાણોની તપાસ એન્ફોર્સમેન્ટ વિભાગે શરૂ કરતાં બેન્કના સ્થાપક રાણા કપૂરની ધરપકડ કરાઈ હતી રાજ્યની આરોગ્ય સેવાના નિયામક ડોક્ટર અજય ચક્રવર્તીએ ઉત્તર અને દક્ષિણ બંગાળની હોસ્પિટલોની મુલાકાત લઈને કોરોનાથી અસરગ્રસ્ત અથવા શંકાસ્પદ કેસના દર્દીઓની સારવારની સજ્જતાની માહિતી મેળવી છે તેમણે કહ્યું કે કુપોષણની સમસ્યા પણ મહિલાઓની સક્રિય ભાગીદારીથી નિવારી શકાશે સંકટમાં મુકાયેલી યસ બેન્કમાં નાણાંકીય ગેરરીતિની તપાસ શરૂ થતાં રોશની કપુર સહિત રાણા કપૂરના પરિવારજનો સામે લૂક આઉટ નોટિસ જારી કરાઈ હતી પંચાવન બે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નારી શક્તિ પુરસ્કાર વિજેતા મહિલાઓએ સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સમગ્ર દેશને પ્રેરણા આપી છે શ્રી દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે સૂચિત નવો કાયદો કસૂરવાર સામે ઝડપી કાર્યવાહીની જોગવાઈ ધરાવતો હશે દરમિયાન ઇરાનમાં કોરોનાના કારણે વધુ ઓગણપચાસ લોકોના મૃત્યુ થયા છે ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી દેશમુખે ટવીટર ઉપર આ મુજબ જણાવીને તેમની ટવીટર પોસ્ટ ઉપર સૂચનો આપવા કહ્યું હતું જયશંકરે જણાવ્યું છે કે ઇરાનમાં અટવાયેલા ભારતીયોના સિનિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને તેમને ભારત લાવવાની વ્યવસ્થા બાબતે ઇરાનના સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે તેમણે આ હેતુથી સૂચનો આપવા લોકોને અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે મહિલાઓને સમાન તક આપ્યા વિના કોઈપણ દેશની પ્રગતિ થઈ શકતી નથી આરબીઆઈએ જણાવ્યું છે કે કેટલાંક પ્રસાર માધ્યમોએ માર્કેટકેપના આધારે બેન્કોની સોલ્વન્સી બાબતે કરેલા અયોગ્ય વિશ્લેષણના કારણે બેન્કોમાં રહેલી થાપણો અંગે ચિંતા ઊભી થઈ છે રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ જણાવ્યું છે કે મુંબઈ અને પૂણેમાં પંદર લોકોને હજી તબીબી દેખરેખ હેઠળ રખાયા છે ગઈકાલે દિલ્હીમાં નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત દેશનો દરજ્જો મહિલાઓના સક્રિય યોગદાન બદલ મેળવી શક્યો નહોત તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કેસ હજી સુધી નોંધાયો નથી સાયકલ દાંડી યાત્રા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરત પોલીસ દ્વારા સાયકલ પર દાંડી યાત્રા કરવામાં આવી છે પચ્ચીસ સાત હવામાન સૌરાષ્ટ્રના પોરબંદર અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં આજથી આગામી અડતાલીસ કલાકમાં ગરમીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આઝાદી છે પોલીસ કમિશનર કચેરીથી સવારે પાંચ વાગ્યે ખજોદ ગામના એક સો ચાર વર્ષના પ્રભુભાઈ નાનુભાઈ આહીરે લીલી ઝંડી દર્શાવી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આયુષ્માન ભારત અંતર્ગત નવી ટેકનીકથી લેસર ઓપરેશન કરવામાં આવ્યું હતું આજરોજ આહવા તાલુકાના સુદા ગામમાં બાર જેટલી દેશી ગાયો નું દાન મહિલાઓને કરવામાં આવ્યું હતું હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નાના છોકરાઓ અને વડીલોને ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે પચ્ચીસ છ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મફત ઓપરેશન કરવામાં આવ્યું છે।